જેના કારણે રાજધાની દિલ્હી સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પુર આવ્યું હતું. પૂર વધવાના કારણે દિલ્હીના લાલ કિલ્લાથી યુપીના મથુરા સુધી જળબંબાકાર થયું હતું. હરિયાણા સરકારે પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યમુના નદી ઉપર બાંધ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ. ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધીએ સંસદમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે સભ્યપદ પુનઃસ્થાપિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. ભાજપના સાંસદો તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, આજે તેઓ અદાણી પર બોલશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું મારા મનથી નહીં પણ મારા દિલથી બોલવા માંગુ છું. તેમણે કહ્યું કે ભાજપના મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, આજે હું તમારા પર વધારે હુમલો નહીં કરું. ગૃહમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં હું ભારતના એક ખૂણાં થી બીજા ખૂણે ગયો. દરિયાકિનારેથી કાશ્મીર સુધી ચાલ્યા. લોકોએ મારા ચાલવાનો હેતુ પૂછ્યો. લોકસભામાં બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકર સાહેબ, સૌ પ્રથમ તો હું મને ફરીથી લોકસભાના સાંસદ તરીકે સ્થાપિત કરવા બદલ તમારો આભાર માનું છું. જ્યારે મેં છેલ્લી વાર વાત કરી હતી ત્યારે કદાચ મેં તમને મુશ્કેલી આપી હતી કારણ કે મેં અદાણી પર કેમ ધ્યાન કેન્દ્રિત કર્યું કદાચ તમારા વરિષ્ઠ નેતાને દુઃખ થયું હશે. એ પીડા તમને પણ અસર થઈ હશે. આ માટે હું તમારી માફી માંગુ છું પણ મેં સાચું કહ્યું. મણિપુર પર રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો થયો હતો, કિરણ રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. "કુછ હી દીન મે ભેડિયા ચીટી બન ગયા": લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા પર કહ્યું કે, શરૂઆતમાં જ્યારે મેં યાત્રા શરૂ કરી ત્યારે મારા મનમાં હતું કે, જો હું દરરોજ દસ કિલોમીટર દોડી શકું તો પચ્ચીસ કિલોમીટર ચાલવું આ મોટી વાત નથી. ત્યારે મારા મનમાં અહંકાર હતો, પણ ભારત અહંકારને ભૂંસી નાખે છે, એક સંકેત માં ભૂંસી નાખે છે. તેથી બે-ત્રણ દિવસમાં ઘૂંટણનો દુખાવો શરૂ થયો, તે જેની ઈજા હતી.